કચ્છ સિવાયના અન્ય જિલ્લાઓમાં, જૂનાગઢમાં સિઝનના સરેરાશ વરસાદના સિત્યોતેર ટકા જેટલો સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારબાદ જામનગર છે. જો ઓછા વરસાદની વાત કરીએ તો, પૂર્વ મધ્યમાં સિઝનના સરેરાશ વરસાદના ત્રીસ ટકા પણ વરસાદ થયો નથી. હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. જો કે, તે અગિયાર જુલાઈથી ધીમે ધીમે વરસાદની ગતી ઓછી થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. મોહંતીએ જણાવ્યું હતું કે, "આગામી ચોવીસ કલાકમાં, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને અન્ય કેટલાક જિલ્લાઓ જેવા સમગ્ર રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. " "સોમવારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની અપેક્ષા છે." તેવું હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું. આ સિવાય "આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા, તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના સોમવારના હવામાન બુલેટિનમાં જણાવાયું છે કે, રાજ્યભરમાં ત્રીસ-ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળીના ચમકારા અને સપાટી પરના પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાત પ્રદેશના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં મંગળવારે ભારે વરસાદની સંભાવના છે. સક્રિય ચોમાસાની સ્થિતિને લીધે, તોફાની હવામાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર પ્રવર્તે તેવી શક્યતા છે, જેમાં રવિવારની મોડી રાત સુધી જખાઉથી દીવ સુધી ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર ત્રણ પોઈંટ પાંચ થી ચાર પોઈંટ છ મીટર જેટલા ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે. દિલ્હી વરસાદી આફત: ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ? દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તા તૂટી રહ્યા છે. આ બાધા વચ્ચે લોકો વરસાદની મજા પણ લઈ રહ્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ – આ બંને સંપૂર્ણપણે અલગ અલગ રોકાણના વિકલ્પો છે. સવાલ એ થાય છે કે તમને સૌથી વધુ ફાયદો બંનેમાંથી ક્યાં મળશે. ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે, જે મુખ્યત્વે ઇક્વિટી અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સમાં રોકાણ કરે છે. તો ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો પરંપરાગત વિકલ્પ છે, જેને તમે કોઈપણ બેંકમાં એક સાથે રકમ તરીકે જમા કરી શકો છો.